મેં કહ્યું, "આ ક્ષણે સોશિયલ મીડિયા પર લોગ ઇન કરવું જાણે કે વિશ્વના અંતે કોઈનો હાથ પક્ડયાં જેવું લાગે છે" અને આ સમયે એકલતાએ જવાબ આપવાનાં બદલે લોકો સામે આવ્યાં જેણે મને જવાબ આપવાનું અને પછી એકબીજા સાથે વાત કરવાનું શરૂ અને ધીરે ધીરે આ નાના સમુદાયની રચના થઈ. બધા હાથ પકડવા માટે ભેગા થયા. અને આ જોખમી અને અનિશ્ચિત સમયમાં તે બધાની વચ્ચે મને લાગે છે કે જે આપણી પાસે સાચવવા માટે તે અન્ય લોકો છે. અને હું જાણું છું કે તે નાના ક્ષણોથી બનેલી નાની વસ્તુ છે પરંતુ મને લાગે છે કે તે પ્રકાશની એક નાની ચમક છે ઘોર અંધકારમાં. મદદ માટે પૂછવુ મૂળભૂત રીતે સૌથી ખરાબ છે, બરાબર? તેમ છતાં ઘણી રીતે તે મૂર્ખાઇ છે કે સહાયની જરૂર હોવાનું સ્વીકારતા ડર લાગે છે પછી ભલે તે કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી હોય અથવા મિત્ર અથવા સહકર્મક પાસેથી અથવા તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી પણ કોઈક રીતે તે હંમેશા થોડી અસ્વસ્થતા અને શરમજનક લાગે છે ખરેખર મદદ માટે પૂછવું. શા માટે મોટાભાગના લોકો મદદ પૂછવાનું ટાળે છે જ્યારે પણ માનવીય શક્ય હોય? મારા પિતા, પિતાના તે સૈન્યમાંના એક હતા જે તેના બદલે મગર-ચેપી સ્વેમ્પથી વાહન ચલાવે ખરેખર કોઈને રસ્તા પર પાછા જવા માટે પૂછવા કરતાં. જ્યારે હું બાળક હતો, અમે એક કુટુંબ વેકેશન લીધું. અમે સાઉથ જર્સીમાં આવેલા અમારા ઘરેથી નીકળ્યા કોલોનિયલ વિલિયમ્સબર્ગ જવા અને મને યાદ છે અમે ખરાબ રીતે ખોવાઈ ગયા. તેથી જો આપણે સહાય માટે પૂછવા જઈશું અને આપણે બધા કરીએ છીએ, વાસ્ત્વમા દરેક દિવસ અમે આપણે તેની સાથે આરામદાયક થવાનું શરૂ કરીશું અને તેથી આપણે તેની સાથે સારા થઈશુ ખરેખર તકો વધારવા માટે કે જ્યારે તમે કોઈની પાસે મદદ માટે પૂછો. તેઓ ખરેખર હા કહેવાના છે. અને માત્ર તે જ નહીં, પણ તે તેને ખરેખર સંતોષકારક લાગશે. અને તમને મદદ કરવા માટે લાભદાયક છે કારણકે આ રીતે, તેઓ ભવિષ્યમાં તમારી સહાય કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરિત થશે. તેથી મેં ને મારા સહકર્મીઓએ સંશોધન કર્યું, "શા માટે લોકો ઘણી વાર હા પાડે છે?" તેના પર ઘણો પ્રકાશ પાડ્યો છે કે મદદ માટે અમારી વિનંતીઓ પર અને "શા માટે ક્યારેક તેઓ ના પાડે છે?" હવે મને હમણાં કહીને પ્રારંભ કરવા દો, જો તમને મદદની જરૂર હોય, તમારે તેના માટે પૂછવું પડશે. મોટેથી. બરાબર? આપણે બધા અમુક અંશે એવી વસ્તુથી પીડાઇએ છીએ જેને મનોવૈજ્ઞાનિકો કહે છે "પારદર્શિતાનો ભ્રાંતિ".